ઉંમર સાથે, લોકો તેમના ભાવિ પરિવર્તનનો અંદાજ લગાવતી વખતે તેમના કરતાં નાના લોકોમાં થયેલા ભૂતકાળના ફેરફારોને યાદ રાખવામાં ઓછા સક્ષમ હતા. વીસ વર્ષના લોકોએ આગાહી કરી હતી કે ત્રીસ વર્ષની ઉંમરે પણ તેમને એ જ ખોરાક ગમશે. પરંતુ ત્રીસ વર્ષના લોકોએ પાછળ ફરીને જોયું ત્યારે સમજાયું કે તેમની પસંદગીઓ ખરેખર બદલાઈ ગઈ હતી. ત્રીસ વર્ષના લોકોએ આગાહી કરી હતી કે ચાલીસ વર્ષની ઉંમરે પણ તેમના એ જ સારા મિત્રો રહેશે, પરંતુ ચાલીસ વર્ષના લોકોમાંથી ઘણા તેમના કેટલાક જૂના મિત્રો સાથે સંપર્ક ગુમાવી ચૂક્યા હતા. એ જ રીતે, ચાલીસ વર્ષના લોકોએ આગાહી કરી હતી કે તેઓ પચાસ વર્ષની ઉંમરે પણ એ જ મૂળભૂત મૂલ્યો જાળવી રાખશે, જ્યારે પચાસ વર્ષના લોકોએ પાછળથી જોયું ત્યારે તેમના વિચારો અને મૂલ્યોમાં પણ ફેરફાર થયો હતો. જ્યારે વૃદ્ધ લોકો યુવાન લોકોની તુલનામાં ઓછા બદલાયા હતા, ત્યારે તેમ પણ તેઓ પોતાના ભાવિમાં થનારા બદલાવને ઓછો આંકતા હતા. આપણે જીવનના કોઈપણ તબક્કે હોઈએ, ઇતિહાસનો અંત ભ્રમણા ચાલુ રહે છે: આપણને લાગે છે કે આપણા વ્યક્તિગત પરિવર્તનનો મોટો ભાગ પહેલેથી જ આપણા પાછળ રહી ગયો છે. આ વિચારનું એક પરિણામ એ છે કે આપણે વર્તમાન પસંદગીઓના આધારે ભવિષ્યની પસંદગીઓમાં વધારે રોકાણ કરીએ છીએ. જ્યારે આ ભૂલ કોન્સર્ટમાં જવા જેવી નાની બાબતમાં થાય છે, ત્યારે તેની અસર મર્યાદિત હોઈ શકે છે. પરંતુ આપણે ઘર, જીવનસાથી અથવા નોકરી જેવા વધુ ગંભીર અને લાંબા ગાળાના નિર્ણયો લેવામાં પણ આવી જ ખોટી ગણતરી કરી શકીએ છીએ. તે જ સમયે, ભવિષ્યમાં આપણી પસંદગીઓ શું હશે તેની ચોક્કસ આગાહી કરવાની કોઈ વાસ્તવિક રીત નથી. જો ઇતિહાસનો અંત ભ્રમણા ન હોય, તો કદાચ લાંબા ગાળાની કોઈ યોજના બનાવવી મુશ્કેલ બની જાય. તેથી આ ભ્રમણા આપણા વ્યક્તિગત જીવન પર તો લાગુ પડે છે, પરંતુ વિશાળ વિશ્વનું શું? શું આપણે એવું માની લઈએ છીએ કે વસુ વસ્તુઓ આજે જેવી છે, તેવી જ ભવિષ્યમાં પણ રહેશે? સદભાગ્યે, ઇતિહાસના અસંખ્ય રેકોર્ડ્સ આપણને યાદ અપાવે છે કે દુનિયા બદલાઈ છે, અને ઘણી વખત વધુ સારા માટે પણ આપણી વર્તમાન ઐતિહાસિક ક્ષણ ઇતિહાસનો અંત નથી. અને તે આપણને આરામ આપવાનું કારણ બની શકે છે, પરંતુ સાથે સાથે ચિંતા કરવાનું કારણ પણ બની જાય શકે છે. જીની, વિલ અને એડિના ત્રણ વરિષ્ઠ નાગરિકો છે, જેઓ એક ખાસ સંબંધથી જોડાયેલા છે. તેઓ પોતાના બંધનને વૃદ્ધાવસ્થામાં આવતી એકલતા સામેની ઢાલ તરીકે જુએ છે. હું તેમને પહેલી વાર લોસ એન્જલસના એક નિવૃત્તિ ગૃહમાં મળ્યો, જ્યાં હું ત્રણ વર્ષથી ફોટોગ્રાફી કરી રહ્યો હત એક રાત્રે મેં તેમને દરવાજેથી પસાર થતા જોયા અને તેમની વચ્ચેનું તાત્કાલિક જોડાણ મારી નજરે પડ્યું. તેમના સંબંધની સંપૂર્ણ વિગતો મને ખબર નહોતી, પરંતુ મને તરત જ લાગ્યું કે તેઓ કોણ છે અને તેમની વાર્તા શું છે તે મારે જાણવું જોઈએ. એક દિવસ મેં એક નર્સને તેમના વિશે પૂછ્યું. તેણે કહ્યું, ઓહ, તમે થ્રીજી વિશે વાત કરી રહ્યા છો. હું થોડો ચિંતિત થયો. ત્રણેય દિવસ દરરોજ કોફી અને ડોનટની દુકાનો, બસ સ્ટોપ અને શેરીના ખૂણાઓ તરફ નાના સા સાહસો પર નીકળી પડતા.